ભૂમિના એપાર્ટમેન્ટમાં નાના મંદિર માટે સમર્પિત જગ્યા છે. પૂજા રૂમને સૌંદર્યલક્ષી રીતે શણગારવામાં આવે છે જેથી વ્યક્તિ શાંતિથી બેસીને પ્રાર્થના કરી શકે. ભગવાન ગણપતિ નૈસર્ગિક સફેદ પ્લેટફોર્મ પર બિરાજમાન છે. ત્યાં એક લાકડાનું માળખું પણ છે જ્યાં આગળના પગથિયાં પર ભગવાન કૃષ્ણ અને અન્ય દેવતાઓ નિવાસ કરે છે. પૂજાની તમામ વસ્તુઓ માટે મંડપની બાજુમાં ઘેરા લાકડાનું સ્ટૂલ છે. ભૂમિના ફ્લેટમાંનું રસોડું સરળ અને ન્યૂનતમ છે જેમાં આધુનિક ઉપકરણો છે. તેણીએ રસોડા માટે તટસ્થ રંગો પસંદ કર્યા છે જે ઘરના બાકીના ભાગોથી અલગ છે. રસોડામાં ઑફ-વ્હાઇટ ફ્લોર બોર્ડ્સ અને ફ્લોર-ટુ-સીલિંગ કાચની બારીઓ છે જે અંદર પુષ્કળ કુદરતી પ્રકાશને મંજૂરી આપે છે. રસોડાના બાકીના ઘટકો મોડ્યુલર છે અને ત્યાં સિલ્વર રેફ્રિજરેટર અને ટેન કાઉન્ટર્સ છે. ભૂમિના શયનખંડ એકંદરે છટાદાર, આધુનિક વાતાવરણનું પ્રદર્શન કરે છે. ભૂમિના રૂમમાં સુંવાળપનો ગાદલા સાથે ચોકલેટ બાર આકારનું ચામડાનું હેડબોર્ડ છે જે ઊંઘનો શ્રેષ્ઠ અનુભવ આપી શકે છે. તેજસ્વી દિવાલો તેના મનપસંદ કલાકારોના ચિત્રો, આલ્બમ કવર અને મૂવીઝથી ભરેલી છે. તમે એવા કલાકારોના ફોટા શોધી શકો છો જેમણે સ્ક્રીન પર મજબૂત મહિલા પાત્રો ભજવ્યા છે જેમ કે ઑડ્રે હેપબર્ન અને વન્ડર વુમન. ભૂમિનું ઘર તેની રુચિઓ અને માન્યતાઓને પ્રતિબિંબિત કરે છે અને તેની દિવાલો તેનો પુરાવો છે. તેણીના ઘરની દિવાલો તેના પ્રિય અભિનેતાઓ, સંતો અને આધ્યાત્મિક ગુરુઓના પોસ્ટરોથી શણગારેલી છે જે તેને પ્રેરણા આપે છે. ભૂમિ પેડનેકરનો જન્મદિવસ તેણીએ "ધ ભૂમિ ફાઉન્ડેશન" ની શરૂઆતની જાહેરાત કરી. જુલાઈ ભૂમિ પેડનેકર આજે વર્ષની થઈ અને અભિનેત્રીએ તેના દિવસની શાનદાર શરૂઆત કરી. તેણીએ તેણીના જન્મદિવસના સપ્તાહની શરૂઆત તેની બહેન અને મિત્રો સાથે રજા પર જઈને કરી હોવા છતાં, તેણીએ આજે કંઈક ખાસ જાહેર કર્યું. તેણીએ ક્લાઇમેટ વોરિયર અભિયાન શરૂ કર્યું અને હવે "ધ ભૂમિ ફાઉન્ડેશન" શરૂ કર્યું છે. એક બિન-લાભકારી સંસ્થા છે જેનો ઉદ્દેશ્ય પ્રદૂષણની અસરોને ઘટાડીને અને આબોહવા સંરક્ષણવાદીઓને સશક્તિકરણ કરીને પર્યાવરણનું જતન કરવાનો છે. તેણીએ તેના જન્મદિવસની સવારેલોન્ચની જાહેરાત કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે તે હવેથી તેની કમાણીનો એક ભાગ ફાઉન્ડેશનને આપશે. ભૂમિએ આજે ટ્વિટર થ્રેડની શ્રેણીમાં જાહેરાત કરી હતી. વર્ક ફ્રન્ટ પર તે છેલ્લે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે "અફવાહ" માં જોવા મળી હતી.